ઓનલાઈન પેમેન્ટ ફ્રોડ અંગે સમિતિની ચિંતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હસ્તકની સંસ્થાઓ પાસેથી મળેલા આંકડાઓને ટાંકીને સમિતિએ નોંધ્યું છે કે ભારતમાં પેમેન્ટ સંબંધિત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. સમિતિના જણાવ્યા અનુસાર, સાયબર ફ્રોડ અંગે મર્યાદિત જાગૃતિના કારણે ઘણા લોકો પેમેન્ટ ફ્રોડની ઘટનાઓની જાણ પોલીસ અથવા અન્ય સત્તાવાર સંસ્થાઓને કરતા નથી. સંસદમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, નવેમ્બરથી માર્ચ દરમિયાન સંબંધિત લોકપાલની કચેરીમાં બે હજારથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. શું માત્ર ટેક્નોલોજીથી ઓનલાઈન પેમેન્ટ ફ્રોડ અટકશે? નાણાકીય છેતરપિંડી ઘટાડવા માટે ટેક્નિકલ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં તેની પોતાની મર્યાદાઓ છે. ઉદાહરણ તરીકે, કેટલીક પેમેન્ટ છેતરપિંડીની ઘટનાઓને રોકવામાં આ પગલાં નિષ્ફળ રહ્યા છે. કેટલીક ઘટનાઓમાં પેમેન્ટ સપ્લાય ચેઇનના મહત્વના સભ્ય ગણાતા બિઝનેસ કોરસ્પોન્ડન્ટ જ છેતરપિંડીમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. બિઝનેસ કોરસ્પોન્ડન્ટ શું છે? બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એક અનૌપચારિક બેંકિંગ એજન્ટ છે, જે બાયોમેટ્રિક પોઈન્ટ-ઓફ-સેલ મશીનથી સજ્જ હોય છે અને માઇક્રો-એટીએમ જેવી સેવા આપે છે. ધારો કે કોઈ વ્યક્તિને રૂપીયા પાંચસો ઉપાડવાના હોય. તો તેણે પોતાનું આધાર આધારિત બાયોમેટ્રિક અને બેંકની વિગતો બિઝનેસ કોરસ્પોન્ડન્ટને આપવાની રહે છે. ત્યારબાદ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ તેને રૂપિયા પાંચસો ચૂકવે છે. જોકે, આ વ્યવસ્થાથી વાકેફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક બિઝનેસ કોરસ્પોન્ડન્ટ ગ્રાહકોને ચૂકવવામાં આવેલી રકમ કરતાં વધુ રકમની ઓનલાઈન હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ દ્વારા વ્યવહાર કર્યા બાદ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ પાસેથી પેમેન્ટની રસીદ લેવાની પણ ઘણી વખત તસ્દી લેતા નથી. છેતરપિંડીની શક્યતા વધુ વધી શકે છે. હિંડનબર્ગના અહેવાલ બાદ ટિન્ગો ગ્રૂપના શેરમાં કડાકો અદાણી ગ્રૂપ બાદ હિંડનબર્ગ રિસર્ચે ટિન્ગો ગ્રૂપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. હિંડનબર્ગે પોતાના અહેવાલમાં કંપનીને “એક અસાધારણ કૌભાંડ” ગણાવી હતી. અહેવાલ બાદ કંપનીના શેરમાં એક જ દિવસમાં આશરે અડતાળીસ ટકાનો ઘટાડો થયો હતો. હિંડનબર્ગે આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા અને ગલ્ફ દેશોમાં બિઝનેસ કરતી ફિનટેક કંપની ટિન્ગો ગ્રૂપ પર નાણાકીય આંકડાઓમાં હેરાફેરી અને કાયદાકીય ફાઇલિંગમાં ખોટી માહિતી આપવાનો આરોપ મૂક્યો હતો. ટિન્ગો ગ્રૂપે હિંડનબર્ગના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. ટિન્ગો ગ્રૂપના સ્થાપક પર પણ આરોપ હિંડનબર્ગે ટિન્ગો ગ્રૂપના સ્થાપક ડોઝી મોબુઓસી પર પણ વ્યક્તિગત સ્તરે ગંભીર આરોપો મૂક્યા હતા.